તે લોકો માટે છે જેઓ સ્ટીલ લુક જાળવી રાખવા ઈચ્છે છે પરંતુ અમુક સ્ટાઈલ સાથે. ડિઝાઇન બનાવવા માટે સ્ટીલનો ઉપયોગ થાય છે. સફેદ રંગીન દેખાય અહીંથી ફરીથી લાકડાની સીડીઓ સાથે મેચ કરવા માટે લાકડાના કામનો ભ્રમ બનાવવા માટે પેઇન્ટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલુ થીમ સાથે મેચ કરવા માટે સ્ટીલ ગ્રિલ્સને સફેદ રંગવામાં આવે છે. તફાવત શોધવાનું મુશ્કેલ છે ખરું? પેઇન્ટેડ સ્ટીલ ગ્રીલ ડિઝાઇન ગ્લાસ સાથે સ્ટીલ તમારી સીડીની ગ્રીલ ડિઝાઇનમાં કાચની પેનલ ઉમેરવી સ્ટીલવર્કના ઓવરડોઝની ભરપાઈ કરવાની સૌથી સ્માર્ટ રીત છે. સ્ટીલના સળિયા મુખ્ય ગ્રીલ તરીકે કામ કરે છે અને ફ્રેમવર્કની અંદર કાચની પેનલોને સપોર્ટ પૂરો પાડે છે. વ્યાપારી, ઓફિસની જગ્યાઓ, દુકાનો વગેરેમાં ખૂબ ઉપયોગ થાય છે. સ્ટીલ સપોર્ટ સાથે ગ્લાસ પેનલ્સ, સ્ટીલ કેબલ્સ સાથે બ્લેક મેટલ સીડીની ગ્રીલ ડિઝાઇનથી પ્રેરણા મેળવો. અહીં ફ્રેમને કાળો રંગ આપવામાં આવ્યો છે અને ચાલતા સ્ટીલના વાયરને જેમ છે તેમ રાખવામાં આવ્યા છે. તેમની પહોળાઈ એટલી પાતળી છે કે તે નરી આંખે ભાગ્યે જોઈ શકાય છે. આધુનિક ઘરો માટે એક આદર્શ વિકલ્પ. આધુનિક દેખાવ બનાવટી સ્ટીલ ડિઝાઇન અમે તમને બતાવ્યું છે કે સ્ટીલની સીડીની ગ્રીલ ડિઝાઇન પર સોનાનો પેચ કેવો દેખાય છે. સંપૂર્ણ કાળી વિવિધતાનો સંદર્ભ લો. અહીં ડિઝાઇન બનાવવા માટે સ્ટીલને બનાવટી બનાવવામાં આવે છે અન્યથા કંટાળાજનક સ્ટીલ કેબલમાં તે સુંદર અને સુઘડ લાગે છે. કસ્ટમ ડિઝાઇન કરેલ ગ્રિલ્સ ફ્લોરલ પેટર્ન સાથે દાદર જો તમે તમારા ઘરમાં સુખદ અને કુદરતી વાતાવરણ બનાવવા માંગતા હો, તો દાદરની રેલિંગ ડિઝાઇનમાં ફ્લોરલ મોટિફ્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. ફ્લોરલ પેટર્ન તમારા ઘરની એકંદર સુંદરતામાં વધારો કરતી વખતે વૈભવી અને સંસ્કારિતાની ભાવનાને પણ ઉત્તેજિત કરે છે. ફ્લોરલ પેટર્ન સાથે સ્ટીલ ગ્રીલ ડિઝાઇન, મેશ ઇન્ફિલ પેનલ્સ સાથે સીડી, શું તમે ઓછા-જાળવણી ડિઝાઇન વિચારો શોધી રહ્યાં છો? તમારી દાદરની ગ્રીલ ડિઝાઇનમાં મેશ ઇન્ફિલ્સનો સમાવેશ કરવાનું વિચારો. મેશ ઇન્ફિલ પેનલ અત્યંત ટકાઉ નહીં પણ આકર્ષક પણ છે. મજબૂત અને અસરકારક અવરોધ પ્રદાન કરતી વખતે તેઓ પર્યાપ્ત હવાના પ્રવાહને ટેકો આપે છે. આકર્ષક દેખાવ માટે તમારી ડેકોર થીમને મેચ કરવા માટે મેશ ઇન્ફિલ્સને કોઈપણ રંગમાં રંગી શકાય છે. મેશ ઇન્ફિલ્સ સાથે સ્ટીલ ગ્રીલ ડિઝાઇન. સ્ટીલ ગ્રીલ ડિઝાઇન માટે જાળવણી ટિપ્સ ગ્રીલ ડિઝાઇન સાથે સ્ટીલની સીડીઓ કોઈપણ ઘર માટે એક અદભૂત ઉમેરો છે જે તમારા હોલવેને આકર્ષક, સમકાલીન સ્પર્શ આપે છે અને આવનારા વર્ષો સુધી ટકી રહે છે. તેમની ચમક પુનઃસ્થાપિત કરવા અને લાંબા સમય સુધી શેલ્ફ લાઇફની ખાતરી કરવા માટે, નીચે જણાવેલી જાળવણી ટીપ્સનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.